જો કંઇ બદલાતું નથી, ત્રણ હજાર જેટલી ભાષાઓ એંસી વર્ષોમાં અદૃશ્ય થઈ શકે છે, પરંતુ વસ્તુઓ બદલાઈ રહી છે. વિશ્વભરમાં લોકો પિતૃભાષાઓને પુનર્જીવિત કરી રહ્યાં છે અને તેમની સંસ્કૃતિઓને ફરીથી બનાવવી. જ્યાં સુધી આપણે જાણીએ છીએ, ભાષા સુધારણા માં શરૂ થઈ, જ્યારે વધતી જતી વિરોધીતાના સમયે, યહૂદી સમુદાયો નજરે પડ્યા તેમની પૂર્વજોની ભાષા, હીબ્રુ, સાંસ્કૃતિક પુનરુત્થાનના સાધન તરીકે. અને તે નિષ્ક્રિય રહ્યું હતું થી વધુ વર્ષો માટે, તે પુસ્તકોમાં સારી રીતે સાચવવામાં આવ્યું હતું યહૂદી ધર્મ અને ફિલસૂફી. તેથી યહૂદી કાર્યકરોએ અભ્યાસ કર્યો અને તે તેમના બાળકોને શીખવ્યું, પ્રથમ મૂળ વક્તાઓનો ઉછેર લગભગ સો પેઢીઓમાં. આજે, તે ગુજરાતી છે પાંચ મિલિયન યહૂદીઓ. અને ઓછામાં ઓછા મારા માટે, એસિમિલેટેડ અંગ્રેજી ભાષી સભ્ય યહૂદી ડાયસ્પોરાના, સાંસ્કૃતિક સાર્વભૌમત્વનો આધારસ્તંભ. બે હજાર વર્ષ પછી, અમે હજી પણ અહીં છીએ. હવે, તાજેતરમાં સુધી, હિબ્રુની જાગૃતિ એ વિસંગતતા હતી. થોડી ભાષાઓ છે આપણું હતું તેમ સાચવેલ, અને ઇઝરાઇલની રચના, પ્રથમ યહૂદી રાજ્ય થી વધુ વર્ષોમાં, હિબ્રુના રોજિંદા ઉપયોગ માટે જગ્યા પ્રદાન કરી. બીજા શબ્દોમાં કહીએ તો, મોટા ભાગની સંસ્કૃતિઓ માત્ર એક તક આપવામાં આવી ન હતી. શુભ સાંજ, હું એલિઝાબેથ છું અને હું કોર્નવાલમાં રહું છું. તે કોર્નિશ હતો, કોર્નવોલની પિતૃભાષા, જે આજે તકનીકી છે દક્ષિણ ઇંગ્લેન્ડની કાઉન્ટી. ના દાયકામાં કોર્નિશ કાર્યકરો તેમની સંસ્કૃતિ માટે લડ્યા. ભાષા નિષ્ક્રિય રહી હતી સો વર્ષથી વધુ પરંતુ તેઓ જૂના પુસ્તકો અને નાટકો ઉપયોગ તે તેમના બાળકોને શીખવવા માટે. જો કે, કોર્નિશ બોલનારાઓની આ નવી પેઢી કોર્નવોલમાં ફેલ ફેલાયેલો હતો અને મુક્તપણે ભાષાનો ઉપયોગ કરવામાં અસમર્થ. ના દાયકા સુધીમાં, કોર્નિશ ફરી જાગી ગયો, પરંતુ તે સમુદ્ર નહોતું. પછી, ના દાયકાની શરૂઆતમાં, કોર્નિશ સ્પીકર્સ એક બીજાને મળી અને ડિજિટલ જગ્યાઓનો લાભ આપ્યો દૈનિક ધોરણે બોલવું. ત્યાંથી, તેઓએ આયોજન કર્યું સાપ્તાહિક અથવા માસિક ઘટનાઓ ત્યાંથી, તેઓએ આયોજન કર્યું સાપ્તાહિક અથવા માસિક ઘટના જ્યાં તેઓ ભેગા થઈ શકે અને જાહેરમાં બોલો. આજે, કેટલીક શાળાઓ કોર્નિશને શીખવે છે. કોર્નિશ ભાષાના સંકેતો છે, આઈસ્ક્રીમ કમશિયલ, વિકિપીડિયા, અને મેમ્સ પણ. અને તેમની ભાષા સાથે ફરી એકવાર અકબંધ, કોર્નવોલના લોકો માન્યતા મેળવી છે સાથે સેલ્ટિક રાષ્ટ્ર તરીકે આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ. તેઓ સદીઓ ડાઉન ફરજ પડી એસિમિલેશન અને કહ્યું, "અમે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી નથી. અમે આપતા પોતાના અધિકારમાં લોકો છીએ. અને અમે હજી અહીં છીએ. " અને તેઓ એકમાત્ર નથી. લ્યુઇસિયાનાની ટ્યુનિકા-બિલોક્સી જનજાતિ તેમની પૂર્વજોની ભાષાને પુનર્જીવિત કરી છે. મારું નામ તેયન્ના છે. મારા મિત્રો, તેઓ મને "શાંત તોફાન" કહે છે.